જરૂર હોવું જ જોઈએ. વીસમી સદીના અંત પહેલાં બીજા ગ્રહના મહેમાનો પૃથ્વીની મુલાકાત લેશે તેવી વૈજ્ઞાનિકોની ધારણા હતી, પણ એવું બન્યું નથી. સદીનો સૌથી મોટો બનાવ આ ગણાશે. પૃથ્વી પર એલિયન આવે છે તે અવારનવાર ચર્ચામાં છે જ. આ વિસ્તારમાં કોઈને જવાની મંજુરી નથી અને ત્યાં શું ચાલે છે તે કદી જાહેર થતું નથી. તાજેતરમાં અમેરિકાના મીડિયા માં હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ એલિયન્સ વિશે જાણે છે અને જાહેર કરશે પણ રાબેતા મુજબ વાત દબાઈ ગઈ છે. દરેક અમેરિકન પ્રમુખ કંઇક તો જાણે છે પણ ટ્રમ્પ બોલી જાય તેવા હતા. ત્યાં એવું શું છે કે અમેરિકન પ્રજા કે દુનિયાને કહેવામાં આવતું નથી? સમગ્ર વિસ્તાર આર્મીના કબજા અને જાપ્તા હેઠળ છે. હવે આ લોકો આવે તો શું થાય? આપણી કરતા વિજ્ઞાનમાં ખૂબ આગળ હોય અને મિત્ર ભાવે આવે તો ફાયદો થાય. જો પૃથ્વી પર કબજો,નુકસાન કરવા આવે તો હાહાકાર મચે. દરેક ધર્મ ગ્રંથોમાં બીજી દુનિયા વિશે ઉલ્લેખ છે જ. લાખો પ્રકાશ વર્ષ દૂરથી જો આવે તો તેમની પાસે ખૂબ આગળ વધેલું વિજ્ઞાન હશે જ. લેખકો, ફિલ્મ નિર્માતાઓનો આ માનીતો વિષય છે. સ્ટાર વૉર્સ, ઇન્ટરસ્ટેલર વગેરે, આ અંગે સારો પ્રકાશ ફેંકે છે. ઇન્ટરસ્ટેલર માં તો ભારતીય તત્વજ્ઞાન, બ્રહ્માંડ અંગે ભારતીય શાસ્ત્રોના અવતરણો ટાંકવામાં આવ્યા છે. અધ્યાત્મના નિષ્ણાંતો કહે છે કે સૂક્ષ્મ દુનિયા,અલગ ફ્રેક્વેનસી ની આપણી આજુબાજુ પણ વિકસી રહી છે પણ પુરાવા પર આવતા હજુ સમય જશે. મકરંદ દવે જાણીતા રહસ્યવાદી,અધ્યાત્મ માં આગળ વધેલા હતા. લેખક, કવિ તો હતાં જ. વલસાડના ધરમપુરમાં તેમનો "નંદીગ્રામ" આશ્રમ છે જેને તેમના પત્ની અને જાણીતા લેખિકા કુન્દનિકા કાપડીઆ સંભાળે છે. હું વલસાડ કલેકટર હતો ત્યારે ખાસ તેમને મળવા ગયો. તેમને તેમના ઘણા લખાણો માં બહારની દુનિયાના વર્ણનો કર્યા છે. "યોગી હરનાથના સાનિધ્યમાં" નામનું તેમનું પુસ્તક ગોંડલના સંત નાથાબાપા પર આધારિત છે. હવે આવી બાબતો ઘણા લોકો માને નહિ. સ્વાભાવિક છે પણ બસો વર્ષ પહેલાં કોઈ એવું કહે કે લોકો તેમના ઘરમાં એક બોકસમાં દુનિયાના બનાવો જોશે. એક સાધનથી દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરશે,આકાશમાં ઉડશે કે લોખંડની બોટ દરિયામાં તરશે તો તે વખતે પણ લોકો હસ્યા હોત. આજે વીજળી, બ્લ્યુટૂથ, અવાજના મોજા, છે, જોઈ નથી શકતા તો તેનો ઇનકાર પણ આપણે કરી શકતા નથી. અવાજની કેટલીક ફ્રેક્વેનસી એટલી સૂક્ષ્મ છે કે જો માણસ સાંભળે તો ગાંડો થઈ જાય, પણ આવા અવાજ ઘુવડ, કૂતરા વગેરે સાંભળી શકે છે. પાળેલા કૂતરાને બોલાવવા માટે ખાસ સીટી આવે છે જે તમે વગાડો તો તમને ન સંભળાય